વિચાર્યું કે હત્યા કરું, પોલીસ પકડે અને જીવતો સાબિત થઈ જાઉં. ભાઈનું અપહરણ કર્યું, વીપી સિંહ સામે ચૂંટણી લડી, તો પણ મરેલો જ માનવામાં આવ્યો. ઓગરીસો પંચોતેર માં, લાલ બિહારી વીસ વર્ષના હતા. લગ્નના દસ વર્ષ પછી હમણાં જ ગવના થયું હતું, અને પત્ની ઘરે આવી હતી. માતાએ કહ્યું, "ગામની જમીન ગીરવે મૂકીને બેંકમાંથી થોડી લોન લઈ લો. તમારો ધંધો શરૂ કરો, નહીં તો આગળ બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરશું?" લાલ બિહારી બેંક પહોંચ્યા, પણ મેનેજરે જમીનના કાગળો માંગ્યા. કાગળો લેવા માટે તેઓ પોતાના કાકા પાસે ગયા. કાકા ગુસ્સે થયા. બોલ્યા, "જા, સ્મશાનમાં તારા બાપની રાખમાંથી કાગળો કાઢી લે." પરેશાન લાલ બિહારી ગામના એક માણસની સલાહ પર તહસીલદાર પાસે ગયો. તહસીલદારે જમીનના દસ્તાવેજો કાઢ્યા, તેના પર નજર ફેરવી અને પછી તેમની તરફ જોઈને કહ્યું,"તમે તો મરી ચૂક્યા છો!" લાલ બિહારી રડતા-રડતા તેના પગમાં પડી ગયા, બોલ્યા, "સાહેબ, હું તો તમારી સામે ઊભો છું." તહસીલદારનો જવાબ હતો, "સામે ઊભા છો, પણ સરકારી રેકોર્ડમાં તમે મરી ચૂક્યા છો, અને તમારા હિસ્સાની જમીન તમારા કાકાના દીકરાના નામે નોંધાયેલી છે." લાલ બિહારી આ કહાની કહેતા રડી પડ્યા. "બ્લેકબોર્ડ સિરીઝમાં હું નીરજ ઝા એવા લોકોની કહાની લાવ્યો છું, જેમને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે, પણ તેઓ પોતાને જીવતા સાબિત કરવા માટે લડી રહ્યા છે." આ પહેલાં, યુપીના આઝમગઢ જિલ્લાના મુબારક ચોક પર એક દુકાનદારને મેં પૂછ્યું, "મારે લાલ બિહારીને મળવું છે, તેમના ઘરનું સરનામું જણાવી શકો છો?" દુકાનદારે મને થોડીવાર જોતો રહ્યો, પછી બોલ્યો, "અરે! તમે 'મૃતક બિહારી' નું ઘર પૂછી રહ્યા છો?" મેં કહ્યું, "હા, તે જ જેમને કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે." દુકાનદારે કહ્યું,"એવું કરો, અહીંથી પૂર્વ તરફ રસ્તા પર આગળ વધો, પછી ડાબે વળી જજો. થોડે દૂર જઈને કોઈને પણ પૂછી લેજો. અને હા, તેમને 'મૃતક બિહારી' કહીને પૂછશો તો જ કોઈ જણાવી શકશે. લોકો 'લાલ બિહારી' નામથી નથી જાણતા." હવે 'મૃતક બિહારી' ને મળવા નીકળ્યો. રસ્તામાં વિચારતો હતો કે "આખરે જે વ્યક્તિને મળવા જઈ રહ્યો છું, તે તો સીતેર એક વર્ષ વી જીવતો માણસ છે, લોકો તેને 'મૃતક' કેમ કહી રહ્યા છે?" પગપાળા ચાલતા લગભગ વીસ મિનિટ પછી લાલ બિહારીના ઘરે પહોંચ્યો. તેઓ પોતાના વરંડામાં બેઠેલા હતા. પૂછવા પર આખી કહાની કહેવા લાગ્યા, "તે જમાનામાં જલ્દી લગ્ન થઈ જતા હતા. દર્શ વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા, પરંતુ પત્ની અઢાર વર્ષની થઈ, ત્યારે ઘરે આવી. થોડા દિવસ પછી પોતાનો ધંધો શરૂ કરવા માટે બેંકમાંથી લોન